અને હું તે જોઈ શક્યો. તેને મારા માટે સારું કામ કર્યું નથી. મેં પણ વિચાર્યું, આ સ્પષ્ટ નથી?હું શું આ લગભગ મામૂલી નથી, બરાબર? જો હું અહીં દરેકને કહું, તમારામાંથી કોઈ જૂઠું બોલી રહ્યું નથી. તમારા મૃત્યુ પર અને તમે ખરીદેલા તમામ પગરખાં વિશે વિચારો તમને તમને મળેલા બધા રિટ્વીટ. તમે ક્ષણો વિશે વિચારવા જઈ રહ્યાં છો. પ્રેમ, અર્થ અને તમારા જીવનનામાં જોડાણના. મને લાગે છે કે તે લગભગ એક અણઘડ જેવું છે. પણ હું વાતો કરતો રહ્યો પ્રોફેસર કશેર સાથે અને કહ્યું, "હું કેમ અનુભવું છું આ વિચિત્ર ડબલનેસ?" અને તેણે કહ્યું, "અમુક સ્તરે, આપણે બધા આ વસ્તુઓ જાણીએ છીએ પરંતુ આ સંસ્કૃતિમાં આપણે તેમના દ્વારા નથી જીવતા." અમે તેમને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. તેઓ ક્લીચીસ બની ગયા છે, પરંતુ આપણે તેમના દ્વારા નથી રહેતા. હું પૂછતો રહ્યો કેમ, કેમ ખબર પડશે કંઈક ખૂબ ગહન પરંતુ તેના દ્વારા નથી રહેતા? અને થોડા સમય પછી પ્રોફેસર કશેરે મને કહ્યું, "કારણ કે આપણે મશીનમાં રહીએ છીએ જે આપણને ઉપેક્ષા કરવા માટે બનાવવામાં આવી છે. જીવન વિશે શું મહત્વનું છે મારે ખરેખર તે વિશે વિચારવું પડ્યું કારણ કે આપણે મશીનમાં રહીએ છીએ તે આપણને જીવન વિશેની મહત્વપૂર્ણ બાબતની અવગણના કરવા માટે બનાવવામાં આવી છે. અને પ્રોફેસર કશેર જાણવા માંગતા હતા જો આપણે તે મશીન ખોરવી શકીએ. તેમણે આમાં સંશોધનનો ભાર ભર્યો. હું તમને એક ઉદાહરણ વિશે કહીશ, અને હું ખરેખર અહીં દરેકને વિનંટી કરું છું ટેમના મિત્રો અને પરિવાર સાથે આ પ્રયાસ કરવા માટે. નાથન ડનગન નામના વ્યક્તિ સાથે તેણે કિશોરો અને પુખ્ત વયના લોકોનું જૂથ મળ્યું. શ્રેણીબદ્ધ સત્રો માટે સમય સમય પર સાથે આવે છે મળવા માટે અને જૂથના મુદ્દાનો ભાગ લોકોને વિચારવા લાવવાનું હતું. તેમના જીવનની એક ક્ષણ તેઓને અર્થ અને હેતુ ખરેખર મળ્યા હતા. વિવિધ લોકો માટે તે વિવિધ વસ્તુઓ હતી અને જૂથના મુદ્દાનો ભાગ લોકોને પૂછવાનું કરાવવાનું હતું. ઠીક છે. તમે કેવી રીતે સમર્પિત કરી શકો છો તમારા જીવન વધુ અર્થ અને હેતુના આ ક્ષણોનો પીછો કરવા અને ઓછા, મને ખબર નથી. વાહિયાત ખરીદીની તમને જરૂર નથી, સોશિયલ મીડિયા પર મૂકી અને લોકોને જવા માટે પ્રયત્નશીલ છે. ઓ મારા ભગવાન, ખૂબ ઇર્ષ્યા! અને જે તેમને મળ્યું તે હતું. ફક્ત આ સભાઓ મળી, તે ઉપભોક્તાવાદ, હકો માટેના એક પ્રકારનાં આલ્કોહોલિક જેવા હતા, બરાબર? લોકોને આ સભાઓ કરાવવા માટે, આ મૂલ્યો સ્પષ્ટ કરો.